: સાવધાન! આ રીતે તમારા ઈમેલ, સ્માર્ટફોન, બેંકિંગ, કોમ્પ્યુટર અને સોશિયલ મીડિયાના પાસવર્ડ હેક થાય છે.: આજકાલ લગભગ બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે. આ જ કારણ છે કે સ્માર્ટફોન અને કમ્પ્યુટર પર આપણી નિર્ભરતા વધી છે. અમે કોમ્યુનિકેશન માટે ઓનલાઈન એટલે કે ઈમેલ કે વોટ્સએપ જેવા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત, અમે નેટ બેંકિંગનો પણ ઘણો ઉપયોગ કરીએ છીએ. આ બધાએ એક તરફ આપણું કામ સરળ બનાવ્યું છે, તો બીજી તરફ ઘણા જોખમો પણ ઊભા કર્યા છે. સૌથી મોટો ખતરો આ બધાનું હેકિંગ છે, જે ત્યારે થાય છે જ્યારે પાસવર્ડ હેક થાય છે. ચાલો જાણીએ કે કોઈપણ એકાઉન્ટનો પાસવર્ડ કેવી રીતે હેક થાય છે. ઓળખપત્ર ભરણ: પાસવર્ડ હેક કરવા માટે આ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આમાં, હેકર્સ વિવિધ પ્રકારના સ્પાયવેર અથવા માલવેરની મદદથી વપરાશકર્તાઓના ઓળખપત્રની ચોરી કરે છે. આ સિવાય હેકર્સ ડાર્ક વેબની પણ મદદ લે છે, જ્યાં લીક થયેલા પાસવર્ડ્સની ઘણી લિસ્ટ ઉપલબ્ધ છે. આચેહમાં, સાયબર અપરાધીઓ ત્યાંથી પાસવર્ડ સાથે રેન્ડમલી પ્રયાસ કરતા રહે છે. પાસવર્ડ સ્પ્રે હુમલો: આના માધ્યમથી હેકર્સ ચોરી કરાયેલા કોઈપણ યુઝર્સના એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરે છે. એવા ઘણા પ્લેટફોર્મ છે જ્યાં તેમને લાખો ચોરાયેલા પાસવર્ડ મળે છે. તેઓ એક પછી એક તેનો ઉપયોગ કરે છે. આ ટ્રિકને પાસવર્ડ સ્પ્રે એટેક કહેવામાં આવે છે. જો તમે આનાથી બચવા માંગતા હો, તો સમયાંતરે તમારો પાસવર્ડ બદલવાનું ભૂલશો નહીં. કીલોગર હુમલો: આ પદ્ધતિનો ઉપયોગ હેકર્સ દ્વારા પાસવર્ડ હેક કરવા માટે પણ થાય છે. આમાં, સ્પાયવેરની મદદથી, તમારા કીબોર્ડ ટાઇપિંગને ટ્રેક અને રેકોર્ડ કરવામાં આવે છે. એ જ રીતે, હેકિંગથી બચવા માટે, તમારા ઉપકરણમાં સારો એન્ટીવાયરસ રાખો. બ્રુટ ફોર્સ એટેક: આમાં હેકર્સ તમારી અંગત માહિતીના આધારે પાસવર્ડનો અંદાજ લગાવે છે. તેઓ જુદા જુદા સંયોજનોમાંથી પાસવર્ડ બનાવીને હેક કરવાનો પ્રયાસ કરે છે. આ માટે હેકિંગ સોફ્ટવેરની પણ મદદ લેવામાં આવે છે. શોલ્ડર સર્ફિંગ: આ પદ્ધતિ સૌથી સહેલી છે. આમાં હેકર્સ બાજુમાં બેઠેલા લોકોના ફોન કે કોમ્પ્યુટરમાં ઘૂસીને વારંવાર પાસવર્ડ જુએ છે. પિન ચોરીના આવા કિસ્સાઓ સામે આવે છે. સોશિયલ એન્જિનિયરિંગ: પાસવર્ડ હેકિંગની આ પદ્ધતિ પણ ઘણી લોકપ્રિય છે. આમાં હેકર્સ નકલી સોશિયલ એન્જિનિયરિંગ વેબસાઇટ બનાવે છે. લોકો આ વેબસાઈટની આડમાં આવીને પોતાની ગોપનીય માહિતી અને પાસવર્ડ ત્યાં મૂકી દે છે. આ રીતે, તે પોતે હેકર્સને તેની માહિતી આપે છે. આ રીતે જાહેર કર્યુંપાસવર્ડ હેકિંગની પદ્ધતિઓ અંગે સ્વીડનના પાસવર્ડ મેનેજમેન્ટ અને ઓથેન્ટિકેશન સોલ્યુશન વેન્ડર સ્પેકોપ્સ સોફ્ટવેરના લેટેસ્ટ રિપોર્ટમાંથી આ વાત